માર્કેટની હાલની પરિસ્થિતિમાં શેર વેચીને પ્રોફિટ બુકિંગ કે નવું ઇન્વેસ્ટમેન્ટ કે બજાર વધુ ઉંચે જવાની આશા રાખવી તે અંગે રોકાણકારો અવઢવા છે. આ દરમિયાન વિદેશી ફર્મ બેંક ઓફ અમેરિકા કોઓપરેશન અને એ બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી પચાસનો ટાર્ગેટ વધારીને કર્યો છે. જે દર્શાવે છે કે, ભારતીય શેરબજારમાં આગામી સમયમાં તેજીનો માહોલ રહેશે. નિફ્ટીહ પચાસ ડિસેમ્બરમાં વીશહજાર પચ પાંચસોને સ્પર્શશે. સિક્યોરિટીઝે ઇન્ડિયન માર્કેટના આઉલ્ડલૂકમાં ફેરફાર કર્યો છે. બ્રોકરેજ ફર્મે ડિસેમ્બર બેહજાર ત્રેવીસમાં એનએસઇ નિફ્ટી પચાસ બેન્ચમાર્કનો ટાર્ગેટ અઢાર હજાર થી સુધારીને વીશહજાર પચ પાંન્સો નો ક આ દરમિયાન અમેરિકામાં સાધારણ મંદીથી લઇને કોઈ પણ પ્રકારની મંદી ન આવવાની અપેક્ષા ધારણા છે. નિફ્ટી ડિસેમ્બર સુધી ચૌદ ટકા તેજથી અપેક્ષા એ આઠ ઓગસ્ટના રોજ એક રિપોર્ટમાં જણાવ્યું કે, આઉટલૂકમાં આ ફેરફાર માર્કેટની મુખ્ય ચિંતાને દર્શાવે છે. સંબોધિત અને હાલના વેલ્યૂ ગ્રોથને સપોર્ટ પૂરો પાડે છે. એનએસઇ નિફ્ટી-પચાસમાં તેજીના કારણો એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, "ડિસેમ્બર સુધીમાં અને નિફ્ટી વધીને થવાની અપેક્ષા રાખીએ છીએ, કારણ કે, ઐતિહાસિક રીતે નિફ્ટીનું રિટર્ન અમેરિકાની મંદીના અંતના ઓછામાં ઓછા ત્રણ મહિના પછ પહેલા તેમજ ફેડના અંતિમ દરમાં છ સુધીના વધારાના તબક્કા દરમિયાન મોટે ભાગે હકારાત્મક રહ્યું છે. એ રોકાણકારોને લખેલી એક નોંધમાં જણાવ્યું હતું કે, " સ્થાનિક પ્રવાહો મજબૂત રહેવાનું ચાલુ રાખી શકે છે અને નિફ્ટી માર્કેટ કેમ્પનો ત્રીજો ભાગ હજુ પણ લાંબા ગાળાના સરેરાશ મૂલ્યાંકનથી નીચે છે જેમાંથી કેટલાક સ્ટોક્સમાં ખરીદીની તક છે. " શેરબજારમાં તેજી સામેના જોખમ અને અવરોધેના મત મુજબ, અમેરિકન અર્થતંત્ર, રાજકોષીય નીતિઓ અથવા નાણાકીય કડકાઇને લીધે કોઈપણ અણધારી આંચકોહ બજારને ફરી નીચે તરફ ધકેલી શકે છે. હાલા સમયમાં લાર્જકેપ સ્ટોક્સને પસંદ કરે છે. સ્મોલ અને મિડિયમ કેમ્પ ફેરનું વેલ્યુએશન વધારે દેખાય છે, જ્યારે અર્નિંગ ગ્રોથના અંદાજો ધ વધાર્યા છે. ક્રૂડ ઓહની ઓઇલીના ભાવમાં તાજેતરનો ઉછાળો, અણધાર્યા વરસાદની પેટર્નના પરિણામે ફુગાવાનું દબાણ અને ચીનમાં સંભવિત સ્ટિમ્યુઅલ પેકેજના પગલાંમાથી કોમોડિનના ભાવમાં વધારો થવાથી ઉદભવતા જોખમોને કારણે ટૂંકા ગાળાની મંદીની અપેક્ષા છે. જો કે, આ પરિબળોની અસર અસ્થાયી હોઈ શકે છે અને તીવ્રતા વધારે નહીં હોય, તો રોકાણકારોને બજારમાં મંદીના સમયમાં મૂડી સર્જન કરવાની સલાહ આપે છે. બ્રોકરેજ ફર્મ નિફ્ટીના અર્નિંગ ગ્રોથ વિશે સાવધાન છે, હાલની સત્તર ટકાની વૃદ્ધિની ધારણામા સામે નાણાંકીય વર્ષ બેહજાર પચ્ચીસમાં ઓછો અનુક્રમે તેર ટકા અને અગિયાર ટકાની વૃદ્ધિની અપેક્ષા સ્ટોક માર્કેટમાં ક્યા શેરમાં કમાણી થશે અને ક્યા શેર ખરીદવાથી બચવું મત મુજબ કમાણી ઘટવાનું જોખમ વધારતા કંપનીના શેરની ખરીદી ટાળવાની સલાહ છે, ખાસ કરીને જે કોમોડિના વધતા ભાવને કારણે માર્જિન ઘટવાની આશંકા છે. કમાણીમાં સુધારાને બદલે વેલ્યુએશનમાં થયેલા વધારાને કારણે તાજેતરમાં તેજીવાળા સેક્ટરોમાં પણ સાવધાનીપૂર્વક રોકાણ કરવું જોઈએ.